તમારા રસોડાની દિવાલોને વાદળી રંગમાં રંગો. તમારા લેમ્પશેડ્સ, નોબ્સ, સિંક અથવા છાજલીઓ માટે ગોલ્ડ અને કોપર શેડ્સ પસંદ કરો. તમે તમારા મોડ્યુલર કિચન માટે વાદળી અને મેટાલિક શેડ્સના સંપૂર્ણ સંયોજન પર કામ કરવા માટે ઇન્ટરનેટ પર ઘણી ટીપ્સને પણ અનુસરી શકો છો. રસોડા માટે ચળકતી રંગની પસંદગી હૂંફ માટે ભૂરા અને સફેદ પૃથ્વીના તત્વ સાથે સુમેળમાં બ્રાઉન રસોડું સ્થિરતા અને સ્વસ્થતાને આમંત્રણ આપે છે. નીચેની છબીની જેમ, ભૂરા રંગના શેડ્સમાં રસોડું પસંદ કરો અને સમગ્ર પરિવાર માટે આરામદાયક અને આરામદાયક જગ્યા બનાવો. શેડ્સને મિક્સ કરો અને મેચ કરોછત પર ઘાટા ટોન અને દિવાલો પર ટેક્ષ્ચર ટચનો ઉપયોગ કરો. કેબિનેટ્સ સફેદ સાથે જોડાયેલ મ્યૂટ શેડ હોઈ શકે છે, અને તમે નક્કર લાકડાના ફર્નિચર સાથે દેખાવને પૂર્ણ કરી શકો છો. રસોડા માટે ગરમ બ્રાઉન કલરનો પેઇન્ટ મનોહર સમુદ્ર જેવી રચના માટે રંગો શું ત્યાં કોઈ સમુદ્ર પ્રેમીઓ છે? ધારી શું? યોગ્ય રંગો પસંદ કરીને તમે તમારા રસોડામાં બીચ જેવો અનુભવ કરી શકો છો. તેમાં ચૂનો લીલો, આલૂ, લવંડર, આછો વાદળી અને ઘણા બધાનો સમાવેશ થાય છે. તમારું રસોડું કેવું દેખાશે તે અનુભવવા માટે નીચેની છબી જુઓ. ખોરાકછે જે તમને ઉર્જા આપે છે, અને તમને તમારી બાજુમાં સમુદ્ર સાથે રસોઈ બનાવવાની દૃષ્ટિ ચોક્કસપણે ગમશે. તમારા મોડ્યુલર કિચનને સમુદ્રના શેડ્સમાં પેઇન્ટ કરીનેઅદ્ભુત લાગણીની નકલ કરો. તમારા રસોડામાં બીચ જેવો અનુભવ કરો મોડ્યુલર કિચન માટે પિંક અને ઓલિવ કલર કોમ્બિનેશન લીલા અને પીળા રંગનું મિશ્રણ, ઓલિવ રંગ શાંતિ અને સંવાદિતાનું પ્રતીક છે. એક અત્યાધુનિક શેડ તરીકે ગણવામાં આવે છે, તે તેની જગ્યામાં સકારાત્મકતા લાવવા માટે જાણીતું છે. તેને પાઉડર પિંક સાથે પેર કરો અને નીચેની છબીની જેમદિવાલ પર પ્રિન્ટ સાથે થોડી વિચિત્રતા ઉમેરો અને તમારી પાસે એકસમયે છટાદાર અને સરળ જગ્યા છે. ઓલિવ ગ્રીન કેબિનેટ અને સફેદ કાઉન્ટરટૉપ સાથેનું છટાદાર મોડ્યુલર કિચન. લવંડર અને ગ્રે કિચન કલર કોમ્બિનેશન જો લાવણ્ય તમારી શૈલી છે, તો તમારા રસોડામાં લવંડરનો શેડ પસંદ કરો. જાંબલીનો હળવો શેડ, લવંડર રંગ, શુદ્ધતા અને કૃપાનું પ્રતીક છે. તે શાંતિ અને રાજવી માટે પણ વપરાય છે. તેને તમારા મોડ્યુલર કિચનમાં હળવા રાખોડી રંગના શેડ સાથે મિક્સ કરો અને એવી જગ્યા બનાવો કે જે તમારી વ્યક્તિગત શૈલી વિશે બોલે. દેખાવને વધુ સુંદર બનાવવા માટે, નીચેની છબીની જેમ, ફ્લોર પર કેટલીક મનોરંજક ટાઇલ્સ અને કદાચ સ્ટોવની પાછળ કેટલીક ટેક્ષ્ચર ટાઇલ્સ ઉમેરો. લવંડર અને ગ્રે મોડ્યુલર કિચન માટે ઉત્તમ રંગ સંયોજન બનાવે છે. મોડ્યુલર કિચન માટે ટીલ, વ્હાઇટ અને યલો કલર